ભૂમિ સ્પર્ધાત્મક ફિલ્મ ઉદ્યોગમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવવામાં સફળ રહી છે. તે ટોયલેટ એક પ્રેમ કથા, સાંદ કી આંખ અને પતિ પત્ની ઔર વો અને શુભ મંગલ સાવધાન જેવી કોમેડી નાટકોમાં મજબૂત સ્ત્રી પાત્રો અને સામાજિક રીતે સંબંધિત વિષયો પસંદ કરવા માટે જાણીતી છે. તેણીની અભિનય કૌશલ્ય અને આહલાદક વ્યક્તિત્વ ઉપરાંત, તે એક જાણીતી પ્રકૃતિ પ્રેમી, સામાજિક કાર્યકર અને આબોહવા યોદ્ધા છે. તેણીને વારંવાર પ્રકૃતિ સંરક્ષણ કાર્યક્રમો અને ક્લીન-અપ ડ્રાઇવ્સમાં જોવામાં આવી શકે છે. પ્રકૃતિ પ્રત્યેની તેણીની મોહકતા તેના ઘર અને જીવનશૈલીમાં પ્રતિબિંબિત થાય છે, જ્યાં તેણી તેની માતા સુમિત્રા પેડનેકર અને બહેન સમિક્ષા પેડનેકર સાથે રહે છે. ભૂમિ પેડનેકર ઘર વિશે વધુ જાણવા માટે આગળ વાંચો કે જે એક મનમોહક સમુદ્ર તરફનું ઘર છે જે તેની ટકાઉ જીવનશૈલી અને રુચિઓને પ્રતિબિંબિત કરે છે. ભૂમિ તેની માતા અને બહેન સાથે મુંબઈના એક પોશ રહેણાંક સ્થળોમાં દરિયા તરફના વૈભવી એપાર્ટમેન્ટમાં રહે છે. ઘરની કિંમત અજાણ છે પરંતુ ભવ્ય આંતરિક અને સુવિધાઓથી અભિનેત્રીએ ઘરમાં યોગ્ય રકમનું રોકાણ કર્યું હોય તેવું લાગે છે. ભૂમિ પેડનેકરના સમુદ્ર તરફના એપાર્ટમેન્ટમાં તેના જીવંત વ્યક્તિત્વને પૂરક બનાવવા તત્વોનો સારંગગ્રાહી સંગ્રહ છે. એક ઉત્કૃષ્ટ ઝુમ્મર, એક સુંદર બગીચો અને ફિલ્મ શોખીનો માટે એક ખૂણો સાથેનો એક વિસ્તરતો લિવિંગ રૂમ છે. જ્યારે ભૂમિ અભિનય કરતી નથી, ત્યારે તે કુદરત અને પર્યાવરણ સહિત અનેક કારણોને ટેકો આપવામાં વ્યસ્ત છે. તેણીએ હંમેશા ટકાઉ જીવનને પ્રોત્સાહિત કર્યું છે અને ખ્યાલને તેણીના ઘરના દરેક ભાગમાં સામેલ કરવામાં સફળ રહી છે. મુંબઈના અસ્તવ્યસ્ત, વ્યસ્ત શહેરની વચ્ચે ભૂમિ પેડનેકર ઘર શાંતિ અને હરિયાળીનું ઘર છે. તેણીએ લાંબા દિવસ પછી ફરવા અને આરામ કરવા માટે તેના ઘરમાં નાના, આરામદાયક ખૂણાઓ તેમજ લીલી જગ્યાઓ બનાવી છે. થોડાં વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને ભૂમિ પેડનેકરે પોતાનું નામ બનાવ્યું છે. અહેવાલો અનુસાર, તેણીની કુલ સંપત્તિ રૂપિયા થી વધુ હોવાનો અંદાજ છે. તેણીની માસિક કમાણી આશરે લાખ છે અને વર્ષોથી તેણીની સ્ટાર વેલ્યુમાં વધારો થતાં તે દરેક ફિલ્મ માટે લગભગ કરોડ ચાર્જ કરે છે. ભૂમિ પાસે ઘણી લક્ઝરી કાર છે અને તેને આરામ અને સ્ટાઇલમાં મુસાફરી કરવાનું પસંદ છે. અહેવાલો અનુસાર, તેણી પાસે લક્ઝરી સેનાડ મર્સિડીઝ બેન્ઝ છે અને લેન્ડ રેન્જ રોવરની કિંમત અંદાજે લાખ છે. તેણીની આવકનો મુખ્ય સ્ત્રોત બોલિવૂડ ફિલ્મોમાં તેણીના કામ અને તેણીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ છે. ભૂમિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દીઠ લગભગ લાખ કમાય છે.